કર્ણાટકના બાલાગાવીમાં જનસેવક સમાવેશ સંમેલનના સમાપન સત્રને સંબોધતા શ્રી શાહે કહ્યું કે દેશ આજે આત્મનિર્ભર અભિયાન દ્વારા સ્વનિર્ભરતાનો લક્ષ્ય હાંસલ કરવા કાર્ય કરી રહ્યું છે રાજ્ય સરકારો જાહેર સંસ્થાનો તથા વીમા કંપનીઓ પણ સેમિનાર વોકાથોન પોસ્ટર તથા સ્પર્ધાઓ જેવી પ્રવૃત્તિઓ દ્વારા જાગૃતતા ફેલાવશે કોવિડ રોગચાળા દરમિયાન આરોગ્ય સુવિધાઓ બહેતર બનાવી મૃત્યુદર નીચો રાખવામાં આપણે સફળ રહ્યા છે અને આજે દેશમાં દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે તેમણે નાગરિકોને ભારતીય ઉત્પાદનો ખરીદી દેશના અર્થતંત્રમાં મદદરૂપ થવા અનુરોધ કર્યો છે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકાર રાષ્ટ્રીય સુરક્ષા આત્મનિર્ભરતા અને સામાજીક કલ્યાણ પ્રત્યે પ્રતિબધ્ધ છે પંચાવન અગિયાર મુસ્તુફા નિધન મહાન ભારતીય શાસ્ત્રીય સંગીતકાર અને પદ્મ વિભૂષણથી સન્માનિત ઉસ્તાદ ગુલામ મુસ્તુફા ખાનનું ગઈકાલે મુંબઈ ખાતે નિધન થયું છે તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી મુસ્તફાના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે દેશવ્યાપી કોવિડ રસીકરણ અંતર્ગત બે દિવસમાં બે લાખ પચ્ચીસ હજારથી વધુ લોકોને રસી અપાઈ વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ કૃષિ મંત્રાલયે કહ્યું કે લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી ચાલુ રહેશે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરી આજે નવી દિલ્હીમાં આયોજીત સમારોહમાં માર્ગ સલામતી માસનો પ્રારંભ કરવશે એક મહિના સુધી આયોજીત થનાર કાર્યક્રમોમાં માર્ગ સલામતી પર એક ફિલ્મનું ઉદઘાટન વાઘા બોર્ડરથી કન્યાકુમારી સુધી રાષ્ટ્રીય ચેમ્પયનશીપ સુરક્ષિત ગતિ સ્પર્ધાનું પ્રસ્થાન તથા માર્ગ સલામતી માટે પુરસ્કાર એનાયત કરવા વગેરેનો સમાવેશ થાય છે પંચાવન નવ અનાજખરીદી સરકારે જણાવ્યું છે કે ચાલુ ખરીદ સીઝનમાં લઘુત્તમ ટેકાના ભાવે એક લાખ છ હજાર કરોડના મુલ્યની કરાયેલી ખરીદીથી ઓગણાએંસી લાખ ડાંગર પકવતા ખેડૂતોને લાભ મળ્યો છે મંગળવાર આકાશવાણી અમદાવાદ વડોદરા સુરેન્દ્રનગરદૂધરેજ નગરપાલિકામાં વઢવાણ નગરપાલિકાનો સમાવેશ કરીને સંયુકત નગરપાલિકા રચવામાં આવી છે અને તેનું મુખ્યમથક સુરેન્દ્રનગર રાખવામાં આવ્યું છે દરમિયાન જખૌ મરીન પોલીસની ટીમને હજુ વધુ કેટલોક ચરસ ભરેલા કોથળા દરિયામાંથી મળ્યા હોવાનું જાણવા મળ્યું છે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પર્વ આજે મંદિરોમાં ઉજવાશે મુખ્યમંત્રીએ સોલંકીને શ્રેષ્ઠ સારવાર સુવિધા રહે તે માટે સંપુર્ણ મદદની ખાતરી આપી છે અને તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા આપી હતી કચ્છ માંડવીમાં ભારે વરસાદને કારણે જાહેર રસ્તાઓ ઉપર પાણી ભરાઇ ગયા છે તેઓએ મંજૂર થયેલા કાર્યો ઝડપથી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તેના પર ભાર મૂક્યો હતો બેઠકમાં જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી પાટણના સિધ્ધપુરના અને રાધનપુરના ધારા સભ્ય સહિત જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા પચાસ લાખના ઓગણિસ કામોને મંજૂરી આપવામાં આવી હતી રાજ્ય સરકારે રાજ્યની ત્રણ નગરપાલિકા વિસ્તારમાં તેને સંલગ્ન અન્ય નગરપાલિકા સમાવિષ્ટ કરીને સંયુક્ત નગરપાલિકાની રચના કરવાનો નિર્ણય કર્યો છે જયારે કોસ્ટગાર્ડે પંચાવન પેકેટ કબજે કર્યા છે કચ્છ ચરસ કચ્છના દરિયામાં વિવિધ સુરક્ષા એજન્સી દ્વારા બે દિવસમાં અગિયાર કરોડ ઉપરાંતનું ચરસ મળી આવ્યું છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એક હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જયારે સૌરાષ્ટ્ર કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી છે।